તે આખો સમય ઉત્સર્જન કરે છે. સીએ: અને તમે તે બરાબર કર્યું. તેથી આ બધો ડેટા મોકલવામાં આવ્યો હતો, પરંતુ તમે તેને ઇન્ટરનેટ દ્વારા મોકલી શક્યા ન હોત. એસડી: આ ટેકનિક કેવી રીતે કામ કરે છે તેનો વિચાર એવો છે કે આપણે એક ઓપ્ટિકલ મિરર લઈએ, તેને તોડી નાખીએ અને તેના બધા ભાગોને અલગ-અલગ સ્થળોએ મૂકીએ. સામાન્ય અરીસો જે રીતે કામ કરે છે, તેમાં સપાટી પરથી પ્રકાશના કિરણો પરાવર્તિત થાય છે અને તે જ સમયે એક ચોક્કસ બિંદુ પર કેન્દ્રિત થાય છે. અમે આ બધા રેકોર્ડિંગ્સ લઈએ છીએ અને અણુ ઘડિયાળની ચોકસાઈ સાથે તેમને પાછળથી એક સુપરકમ્પ્યુટરમાં સંપૂર્ણપણે સંરેખિત કરીએ છીએ. આ રીતે આપણે ફરીથી પૃથ્વીના કદના લેન્સ જેવું કંઈક બનાવીએ છીએ. અને આ ડેટા પાછો લાવવાનો એકમાત્ર વ્યવહારુ રસ્તો વિમાન દ્વારા છે. હાર્ડ ડિસ્કથી ભરેલા બોઇંગ સાતસો સત્તાવન જેવા વિમાનની ડેટા ટ્રાન્સફર ક્ષમતાને તમે હરાવી શકતા નથી. સીએ: અને તેથી, હું માનું છું કે થોડા અઠવાડિયા અથવા થોડા મહિના પહેલાં, ક્યાંક એક કમ્પ્યુટર સ્ક્રીન પર આ દૃશ્ય આકાર લેવાનું શરૂ થયું. એ ક્ષણ કેવી રીતે ? એસડી: સારું, તેમાં ઘણો સમય લાગ્યો. સીએ: મારો મતલબ, આ જુઓ. આ જ એ પ્રથમ છબી હતી. તો અમને કહો કે આપણે ખરેખર અહીં શું જોઈ રહ્યા છીએ. એસડી કહે મને હજી પણ આ છબી ખૂબ ગમે છે. તમે જે જોઈ રહ્યા છો તે ફોટોનની છેલ્લી ભ્રમણકક્ષા છે. તમે અવકાશ-સમયમાં આઈન્સ્ટાઈનની ભૂમિકાને જોઈ રહ્યા છો. અવકાશ-સમયનું વળાંક એટલું ઊંડું છે કે પ્રકાશ તેની આસપાસ ભ્રમણકક્ષા કરે છે. બ્લેક હોલની પાછળથી આવતો પ્રકાશ, જે આપણે કદાચ થોડા સમયમાં જોઈશું, તેની આસપાસ ફરી આપણી તરફ આવે છે અને આ સમાંતર રેખાઓ સાથે બરાબર તે ભ્રમણકક્ષામાં ગોઠવાય છે. જ્યારે તમે તેના વિશે વિચારો છો, ત્યારે તે ખરેખર અસાધારણ છે. સીએ: જ્યારે મેં શરૂઆતમાં બ્લેક હોલ વિશે વિચાર્યું, ત્યારે હું વિચારતો હતો કે તેની આસપાસ ઘટના શિક્ષિત છે અને તેની આસપાસ ઘણા બધા આકારના પદાર્થો અને પ્રકાશ ચક્કર લગાવી રહ્યા છે. એસડી કહે તમે અહીં જોશો કે લેન્સની પાછળથી થોડો પ્રકાશ આવી રહ્યો છે અને બ્લેક હોલની સંપૂર્ણ ભ્રમણકક્ષા આસપાસ થોડો પ્રકાશ લૂપની જેમ ફરી રહ્યો છે. પરંતુ જ્યારે બ્લેક હોલની આસપાસના આ બધા ગરમ ગેસમાંથી પૂરતો પ્રકાશ મળે છે, ત્યારે તમે આ તમામ પ્રકાશનાં કિરણોને આ સ્ક્રીન પર એકસાથે આવતા જોઈ શકો છો, જે આપણે જ્યાં ઊભા છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે.